ત્રણ વર્ષની જેલ, પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ ઈમરાન ખાન પર કેમ તૂટી પડ્યો મુશ્કેલીઓનો પહાડ, કયા વિવાદમાં ફસાયા? પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને તોશાખાના કેસ માં કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. તો જોઈએ આ તોશાખાના છે શું? અને ઈમરાન ખાન પર શું આરોપ છે? પાકિસ્તાન પૂર્વ પીએમ ઈમરાન ખાન તોષાખાના કેસ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર ફરી એકવાર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડ્યો છે. થોડા મહિના પહેલા પકડાયેલ ઈમરાન ફરી એકવાર તપાસ એજન્સીઓના રડાર પર આવ્યો છે. તોષાખાના કેસમાં કોર્ટે તેને દોષિત જાહેર કર્યો છે. આ વખતે તેમને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવે ઈમરાન હાલમાં જે મામલામાં અટવાયેલો છે તે તાજેતરનો નથી, પરંતુ તેઓ દેશના વડાપ્રધાન હતા ત્યારથી તેમની સાથે આ વિવાદ ચાલી રહ્યો છે. તોશાખાના શું છે, પાકિસ્તાનમાં તેનું શું મહત્વ છે? હવે તોશાખાના વિવાદને સમજતા પહેલા એ જાણવું જરૂરી છે કે, આ તોશખાના છે શું? પાકિસ્તાનમાં સરકારી તિજોરીને તોશાખાના કહેવામાં આવે છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં કોઈ પણ વડાપ્રધાન કે મોટા નેતાઓ અને અધિકારીઓને વિદેશ પ્રવાસ પર કોઈ પણ ભેટ મળે તો તે જમા કરાવવી જરૂરી છે. તે તોશાખાનામાં જ જમા થાય છે. હવે જો કોઈ પીએમ ઈચ્છે તો તે આ ભેટ પોતાની પાસે રાખી શકે છે. પરંતુ તેની પ્રક્રિયા અલગ રહે છે. જો કોઈ વ્યક્તિ તે ભેટો પોતાની પાસે રાખવા માંગે છે, તો સૌથી પહેલા તેના માટે તે ભેટની હરાજી કરવી પડે છે. એ હરાજીમાં જેટલી તે વસ્તુની કિંમત હોય છે, એટલા પૈસા જમા કરાવવા પડે છે. ઈમરાન ખાન પર શું છે આરોપ? હવે ઈમરાન ખાન પર આરોપ છે કે, તેને આવી ઘણી ભેટ મળી હતી, જે તોશાખાનામાં જમા તો કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તે ભેટોને બજારમાં મોંઘા ભાવે વેચી દીધી હતી. આમ કરીને ઈમરાને પીએમ રહીને પણ ઘણી કમાણી કરી હતી. નિયમ મુજબ, પહેલા ઇમરાને તે ભેટ તોષાખાનામાં જમા કરાવી, પરંતુ બાદમાં તેને સસ્તા ભાવે ખરીદી અને મોંઘા ભાવે બજારમાં વેચી દીધી. તપાસમાં જણાવાયું છે કે, ઈમરાન ખાને તોશાખાનામાંથી તે ભેટ રૂ. ઈમરાને જે ભેટો વેચી તેમાં એક ગ્રાફ ઘડિયાળ, કફલિંકની જોડી, એક મોંઘી પેન, એક વીંટી અને ચાર રોલેક્સ ઘડિયાળોનો સમાવેશ થાય છે.